આવું કરવાથી તમે પણ અમીર બની શકો છો. નિવેશની આદત ન રાખવી: જરૂરત પડવા પર તમારી પાસે પર્યાપ્તથી વધારે રૂપિયા હોય, તે તમને ઉચિત અને સમય પર નિવેશ દ્વારા સુનિશ્ર્ચિત કરી શકો છો. જો તમે સતત રૂપિયા કમાઇ રહયા છો, પરંતુ તેનો સમય પર ઉચિત અને સાચી જગ્યા નિવેશ નથી કરતા તો રૂપિયા કમાવવાનો કોઇ ફાયદો નથી. કેમ કે હોય શકે કે કયારેક જરૂરતના સમયે તમારી પાસે રૂપિયા ન હોય. હમણાં થોડા સમય પહેલાં જ એક્ટર પ્રભાસની ફિલ્મ આદિપુરુષ રીલિઝ થઇ હતી અને અનેક વિવાદોમાં ફસાઈ ગયી હતી, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે ભગવાન રામનો રોલ કર્યા પછી પ્રભાસ તેની પોતાની આવનારી ફિલ્મમાં ભગવાન વિષ્ણુનો રોલ કરવા જઈ રહ્યા છે. જે યુગમાં બની રહી છે તેમાં પ્રભાસ વિષ્ણુના અવતારનો રોલ કરશે. આ ફિલ્મમાં પ્રભાસ એક સુપર હાઇટેક હીરો હશે, જે આધુનિક હથિયારો સાથે સજ્જ થઇને વિલનનો મુકાબલો કરશે. આ ફિલ્મમાં વિલનનો રોલ સાઉથ જગતના જાણીતા કમલ હસન કરી રહ્યા છે.